બાળકોના અભ્યાસ પર ધ્યાન આપો. માતૃ પક્ષ તરફથી કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે. તમારી કોઈપણ જીદ તમારા સંબંધોને બગાડી શકે છે. તમારા અભિગમમાં લવચીક બનો. તમારા ખર્ચને પણ અંકુશમાં રાખો. વેપાર સાથે જોડાયેલી યોજનાઓ તમારા માટે ફાયદાકારક રહેશે. પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઈને મોટો મતભેદ થઈ શકે છે. કન્યા રાશિફળ ગણેશજી કહે છે કે આજે બપોરે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. જે કામ પૂરા ન થવાનો તમને ડર હતો, તે કામ આજે સરળતાથી પૂર્ણ થઈ જશે. નવા વસ્ત્રો અને ઘરેણાં ખરીદવાની યોજના બનશે. ધ્યાનમાં રાખો કે, કોઈપણ કાર્ય કરતા પહેલા, દરેક સ્તરે કાળજીપૂર્વક યોજના બનાવો, પછી જ તેને શરૂ કરો. આજે આખો દિવસ માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં ઘરની બહાર પસાર થઈ શકે છે. એક સરકારી કર્મચારી તરીકે તેમનું કામ વધુ કાળજીપૂર્વક કરવું જોઈએ, અધિકારીઓ ખોટા કારણોસર તમારાથી નિરાશ થઈ શકે છે. તુલા રાશિફળ ગણેશજી કહે છે કે તમારો સમય વ્યસ્ત રહેશે. તમે તમારી મહેનત દ્વારા તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ધ્યાનમાં રાખો કે, યોજના વિના કંઈ પણ ન કરો. ઘરમાં પરિવર્તનની યોજના બનશે. કોઈ જગ્યાએથી દુઃખદ સમાચાર મળી શકે છે જેના કારણે મન ઉદાસ રહેશે. ઉપરાંત, તે તમારા પ્રદર્શનને અસર કરશે. કાર્યક્ષેત્રમાં તમારી વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. અવિવાહિતો માટે સારા સંબંધ આવશે. ઘરના કોઈ વડીલ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. વૃશ્ચિક રાશિફળ ગણેશજી કહે છે કે આજે તમારું ધ્યાન રોકાણ સંબંધિત યોજનાઓ પર રાખો. લાભદાયક સમય છે, તેનો સદુપયોગ કરો. સંતાનની આવકથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે. ઘરના વડીલોની સેવામાં કોઈ અવગણના ન થાય એ માટે તમારી અંગત ફરજો વચ્ચે ધ્યાન રાખવું જોઈએ. તમારા જિદ્દી સ્વભાવને સારી રીતે જાળવી રાખો. માતૃપક્ષ સાથેના સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. ધન રાશિફળ ગણેશજી કહે છે કે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે. તેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આવક અને ખર્ચ સમાન રહેશે. જો કોઈ સ્થળાંતરનું આયોજન કરવામાં આવ્યું હોય તો તે કામો આજે પૂર્ણ થવાની સંભાવના છે. ઘણી વખત ઘણા વિચારો અને યોજનાઓમાં ગૂંચવાયેલા રહેવાથી કામ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. વધુ શિસ્ત જાળવવાથી કેટલીકવાર અન્ય લોકો માટે સમસ્યા પણ સર્જાય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો ઓર્ડર કે કોન્ટ્રાક્ટ મેળવવામાં તમે વ્યસ્ત રહેશો. મકર રાશિફળ ગણેશજી કહે છે કે પરિવારમાં કોઈના લગ્ન અથવા સગાઈ સંબંધિત શુભ કાર્યની રૂપરેખા આપવામાં આવશે. સંતાનોને વિદેશ સંબંધિત કેટલીક સિદ્ધિઓ મળવાની પણ સંભાવના છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત પણ ફાયદાકારક રહેશે. તમને